તમારા ઘરે. બ્લોગમાં, અમે તમારી સાથે નવીન સ્ટોરેજ ડિઝાઇન્સ, ફોલ્ડ કરી શકાય તેવા ફર્નિચર અને યોગ્ય પ્રકારના રંગો સાથેના સ્માર્ટ નાના ઘરના ડિઝાઇન વિચારો શેર કરીએ છીએ જે તમારી જગ્યા જે છે તેના કરતા વધુ વિશાળ લાગે છે. અમે તમારી સાથે તમારા ઘરને કેવી રીતે સ્વચ્છ અને વ્યવસ્થિત રાખી શકો તેના કેટલાક વિચારો અને તમારા નાના ઘર માટે વાસ્તુ ટિપ્સ પણ શેર કરીએ છીએ. આગળ વાંચોસ્માર્ટ સ્મોલ હાઉસ ડિઝાઇન આઇડિયાઝ તમારા નાના ઘરમાં ઉપલબ્ધ જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે અહીં અદ્ભુત વિચારો પર એક નજર છે. વિચારોને સામેલ કર્યા પછી તમારું ઘર વધુ સારી રીતે બદલાઈ જશે. નવીન સ્ટોરેજ સ્પેસ નાના ઘરની ડિઝાઇનને વધારે છેફ્લોર ટુ સીલિંગ અથવા વોલ ટુ વોલ છાજલીઓ નાના ઘરની ડિઝાઇનમાં સ્ટોરેજની જરૂરિયાતોને સારી રીતે પૂરી કરી શકે છે નાના ઘરમાં એક સૌથી પડકારજનક કાર્યવિવિધ વસ્તુઓને સમાવવાનું છે. કપડાંથી લઈને પથારી સુધી, વાસણોથી લઈને દસ્તાવેજો, કરિયાણાની વસ્તુઓથી લઈને સ્થિરદરેક વસ્તુ માટે યોગ્ય સ્ટોરેજ સ્પેસની જરૂર હોય છે. જો કે,બધાને સમાવવા માટે બહુવિધ કબાટ, છાજલી અને ડ્રોઅર લાવવાનું શક્ય નથી. તો, ઉકેલ શું છે? ઠીક છે, આવા કિસ્સાઓમાં, તમે અટકી અથવા છુપાયેલા સંગ્રહ સ્થાનો માટે જઈ શકો છો. ઇનબિલ્ટ ડ્રોઅર્સ, વોલ ટુ વોલ કબાટ અથવા ફ્લોર ટુ સીલીંગ શેલ્વીંગ યુનિટ સાથે પથારી પસંદ કરવાથી ઘણી બધી જગ્યાનો વપરાશ કર્યા વિના વ્યવસ્થિત રીતે વિવિધ મોટી અને નાની વસ્તુઓનો સંગ્રહ કરવામાં મદદ મળી શકે છે. ઉપરની છબી તપાસો અને જુઓ કે કેવી રીતે આખી દિવાલ સરળ ખુલ્લા છાજલીઓની હરોળને સમર્પિત કરવામાં આવી છે. તે નાના ઘરની ડિઝાઇનની સુંદરતામાં વધારો કરે છે અને તેમાં નિક્કનેક્સ, ફોટા, પ્લાન્ટર્સ, પુસ્તકો અને વધુ રાખી શકાય છે. સ્લાઇડિંગ ડોર્સ અને વિન્ડોઝ નાના ઘરની ડિઝાઇનમાં આવશ્યક છે સ્લાઇડિંગ દરવાજા નાના ઘરની આંતરિક ડિઝાઇનમાં જગ્યા બચાવે છે જો વ્યૂહાત્મક રીતે મૂકવામાં અથવા ડિઝાઇનકરવામાં આવે તો દરવાજા અને બારીઓ મોટાભાગની જગ્યા લે છે. જે ઘરની અંદર ખુલે છે તે જગ્યાને અવ્યવસ્થિત અને ગીચ લાગે છે. નાના ઘરની ડિઝાઇનની વાત આવે ત્યારે સ્લાઇડિંગ દરવાજા અને બારીઓ વધુ સારો વિકલ્પ છે. સ્પષ્ટ કાચવાળા એક ઉત્તમ વિકલ્પ છે, ખાસ કરીને કારણ કે તેઓ આસપાસના પ્રકાશને અંદર આવવા દે છે અને જગ્યાને જીવંત અને વિશાળ બનાવે છે. તેઓ આકર્ષક ફ્રેમ્સ પર બાંધી શકાય છે અને ચલાવવા માટે વધુ જગ્યાની જરૂર નથી. તદુપરાંત, તમે સ્લાઇડિંગ દરવાજા અને બારીઓની બંને બાજુએ વસ્તુઓ મૂકી શકો છો અને તેથી વધુ સામગ્રીને સરળતાથી સમાવી શકો છો. નાના ઘરની ડિઝાઇનને ફોલ્ડેબલ ફર્નિચરની